તો પછી તું શા માટે હજી સુધી અહીં જ છે? " તે યુવાને વિનમ્રતાથી કહ્યું, "સાહેબ, માફ કરજો પણ હું અહીં મને પસંદ કરવાની વિનંતી કરવા નથી રોકાયો. પણ હિસાબનીશે ભૂલથી મને મારા ભાડાના પૈસા વધારે આપી દીધા છે તે પાછા આપવા રહ્યો છું. " સી. વી. રામન આ યુવાનની પ્રામાણિકતા જોઈને ખુબ જ પ્રભાવિત થયા. એમણે તેને કહ્યું, "મારા વહાલા બેટા, ચિંતા ન કરીશ. હું તને મારી સંસ્થામાં સંશોધન કરવા પસંદ કરું છું. તારી પ્રામાણિકતા અને સત્યવ્રતા જ તારી મૂડી છે જે તને તારા સંશોધન કાર્યમાં અને જીવનમાં ખુબ જ ઉપયોગી થશે. " વિક્રમ સારાભાઈ ભારતના અંતરિક્ષ વિજ્ઞાનના પિતામહ ગણાતા વિક્રમ સારાભાઈ અલૌકિક બુદ્ધિમતા ધરાવતા વૈજ્ઞાનિક હતા. એમણે દેશ માટે ઘણું પ્રદાન કર્યું છે – ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા , ભારતીય અંતરિક્ષ સંશોધન કેન્દ્ર , અમદાવાદની જગ વિખ્યાત મેનેજમેન્ટ કોલેજ આઈઆઈ એમ, કાપડ ઉદ્યોગમાં સંશોધન માટેની સંસ્થા અટીરા એમની દેશને આપેલ અમૂલ્ય ભેટ છે. વિક્રમ સારાભાઈનું બાળપણ બાળ વિક્રમને શાળાના શિક્ષણ ઉપરાંત તેના ઘરે આવતા ભારતના મહાનુભાવો પાસેથી ઘણું શીખવા મળતું. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, જે. કૃષ્ણમૂર્તિ, મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ, મૌલાના આઝાદ, સી વી રામન જેવા મહાનુભાવો જયારે પણ અમદાવાદ આવતા ત્યારે સારાભાઈ કુટુંબ સાથે જ રહેતા. ખુદ મહાત્મા ગાંધી પણ એમની બીમારી બાદ આરામ કરવા સારાભાઈના ઘરે રહ્યા હતા. આટલા બધા મહાનુભાવોના સંપર્કથી વિક્રમને ઘણું બધું જાણવા મળતું. એમની બુદ્ધિમતા ખીલી ઉઠી અને એમને આધ્યાત્મિક બાબતોમાં પણ રસ પડવા લાગ્યો. ત્યાં વિક્રમે જોયું કે એના પિતા પર રોજ અસંખ્ય પત્રો આવતા. વિક્રમને થયું કે એના પર પણ આવા પત્રો આવતા હોય તો કેવું સારું? એણે પિતાની ઓફિસમાંથી કેટલાક કવર લીધા, તેના પર ટપાલટીકીટ ચોંટાડી, પોતાનું જ સરનામું લખ્યું અને ટપાલપેટીમાં નાંખી આવ્યા. એમના પિતાને ખબર પડી કે વિક્રમને પણ રોજ પત્રો મળવા લાગ્યા છે એટલે એમણે વિક્રમને તે અંગે પૂછ્યું. વિક્રમે હસતાં હસતાં કહ્યું કે તે પોતે જ પોતાને પત્રો મોકલે છે. વિક્રમ બાળપણથી જ ઘણા સાહસિક હતા. ઘરના બધા એમને આવા જોખમી ખેલ ન કરવા ખુબ જ વિનંતી કરતા પરંતુ તેઓ કોઈનું પણ સાંભળતા નહિ. એમના ઘરના ફળિયામાં એક નાનું તળાવ બનાવ્યું હતું. તેમાં એક હોડી પણ રાખેલી.